પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી વ્યવસાયિક સફળતા મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રેષ્ઠ ઘરની બાહ્ય દિવાલોના રંગો, વાસ્તુ મુજબ બેડરૂમ ફર્નિચર પ્લેસમેન્ટ ટિપ્સબેડરૂમ વાસ્તુ ટિપ્સને અનુસરવા માટે સરળ, લગ્ન અને સારા સંબંધો માટે વાસ્તુ ટિપ્સ, ઘર માટે વાસ્તુ દિશાઓઘર માટેવાસ્તુ ટિપ્સ અજમાવો!,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 ઊંઘની વ્યવસ્થાથી લોકોને સૌથી વધુ ફાયદો થયો હોવાનું કહેવાય છે. તેની સકારાત્મક અસરો પણ થોડા સમય પછી દેખાય છે. શા માટે મારે વાસ્તુ અનુસાર સૂવાની શ્રેષ્ઠ દિશાનું પાલન કરવું જોઈએ? વાસ્તુ વૈદિક કાળથી ઉતરી આવી છે અને આપણી સમકાલીન જરૂરિયાતો અનુસાર તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલ છે અને બાંધકામ અને આંતરીક ડિઝાઇન દરમિયાન તે એક મહત્વપૂર્ણ સાધન છે. વાસ્તુ ઘર અથવા મિલકતનો આકાર, કદ અને દિશા નક્કી કરે છે. તે મુખ્ય સિદ્ધાંતો સહિત વધુ સારી રીતે જીવવા માટેની માર્ગદર્શિકા છે. આમાંના કેટલાકમાં સમાવેશ થાય છે- ગોપનીયતા, જગ્યા, સુગમતા, સુઘડતા અને અર્થતંત્ર. આધુનિક આર્કિટેક્ટ અને બાંધકામ કંપનીઓ તેમના બંધારણની જેમ વાસ્તુને અનુસરે છે. તે આપણી ભૌતિક વાસ્તવિકતા અને આપણી આસપાસની શક્તિઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરવામાં મદદ કરે છે. અવકાશી ભૂમિતિ, લેઆઉટ, ગોઠવણી અને જમીનની તૈયારી જેવી માહિતી પણ વાસ્તુમાં મળી શકે છે. સારી રાતની ઊંઘ સુનિશ્ચિત કરવા માટે તમારા બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સ જો તમે વિચારી રહ્યા હોવ કે વાસ્તુ અનુસાર સૂવાની શ્રેષ્ઠ દિશાને અનુસરવા સિવાય તમે બીજું શું કરી શકો છો, તો નીચેના મુદ્દાઓ તપાસો. વાસ્તુની સકરાત્મક અસરોને જોવા માટે તમે તમારા બેડરૂમમાં કેટલાક મોટા અને નાના ફેરફારો કરી શકો છો. તમારા પલંગને કોઈપણ તીક્ષ્ણ ખૂણાઓ સાથે મૂકો. બેડરૂમ તટસ્થ અથવા તો હળવા રંગોમાં રંગવો જોઈએ. ખરાબ સપનાઓથી બચવા માટે સૂટી વખતે તમારા પગ દરવાજા તરફ રાખો. ઘાટા રંગના પડદાનો ઉપયોગ કરો. એલોવેરા જેવા ઇન્ડોર છોડનો ઉપયોગ કરો જે ઊંઘમાં મદદ કરે છે. તમારા પલંગની નીચે કોઈપણ વધારાની વસ્તુઓભરો. સારી ઊંઘ માટે ડ્રીમ ક્રેચર્સ અથવા તો વિન્ડ ચાઇમ્સ જેવી ગુડ લક ફેંગશુઇ વસ્તુઓ મૂકવાનો પ્રયાસ કરો. કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને બેડથી દૂર રાખો. પલંગને દિવાલની સામે મૂકવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ કોઈપણ બારીઓની નીચે અથવા દરવાજા સાથેની રેખામાં નહીં. વાસ્તુપણ ભલામણ કરે છે કે